જો તમારા મોબાઈલની બેટરી ઘણી ઓછી હોય ત્યારે આ મોડનો ઉપયોગ કરો તો તમારી બેટરી જરૂર બચી જશે. જે એપની સાઈઝ નાની હોય તેવી એપનો ઉપયોગ કરવો જો તમારે મોબાઈલની અંદર વધારે વાળી એપ અથવા ગેમ રાખેલી હોય તો તેને અન ઇન્સ્ટોલ કરી નાખો. પ્લે સ્ટોરમાં ઘણી બધી એવી એપ આવે છે જેનું વર્ઝન લાઈટ એટલે કે ઓછી સાઈઝમાં હોય છે. એપ જેમ કે તમે ફેસબુક, મેસેન્જર, સ્કાયપે, ટ્વિટર વગેરેની તમે લાઈટ એપ વાપરી શકો છો. લાઈવ વોલપેપર, વિઝયુઅલ ઇફેક્ટ અને વિજેટને બંધ રાખો તમે મોબાઈલની સ્ક્રીન પર લાઈવ વોલપેપર રાખો છો જેમ કે માછલી તરતી હોય, પહાડોમાંથી પાણી પડતું હોય, તો મિત્રો આ બેકગ્રાઉન્ડમાં સતત ચાલુ રહે છે જેથી તમારી બેટરી વપરાતી રહે છે અને આનાથી તમારું ચાર્જિંગ જલ્દી પૂરું થાય છે. વધારે વિઝયુઅલ ઇફેક્ટ પણ સ્ક્રીનમાં પાવર વધારે લે છે તેને લીધે બેટરી જલ્દી પૂરી થાય તેના લીધે તમારે વિઝયુઅલ ઓછા અથવા તેની જગ્યાએ સાદા ઇફેક્ટ વાપરવા જોઈએ અને તમારી સ્ક્રીન પર વિજેટને પણ હટાવી નાખજો કારણ કે વિજેટ જે-તે એપનો એક ભાગ હોય છે અને તે વિજેટ તેની એપમાથી ડેટા ફેચ કરતી હોય છે અને રિફ્રેશ પણ થતી હોય છે એટલે બેટરી વપરાશ વધે છે. શક્ય હોય તો એપ વાપરો. જો મિત્રો તમે જોયું હશે કે પ્લે સ્ટોરમાં એપ હંમેશા ફ્રી પણ મળે છે અને પૈસા આપીને પણ વાપરવા મળે છે તો મારો આગ્રહ એ છે કે તમે શક્ય હોય તો પૈસા આપીને વપરાય તેવી એપ વાપરો કારણ કે જો તમે ફ્રી એપ વાપરશો તો તેમાં તમને એડ વધારે જોવા મળશે જે તમારા મોબાઈલની બેટરીની ખપત અને એની ઉર્જા પણ વાપરે છે તે તેને લીધે તમારે એવી એપ વાપરવાની જેનાથી તમે પૈસા આપીને વગર એડ એપને વાપરી શકો. ચાર્જિંગ કરતી વખતે મોબાઈલ નો ઉપયોગના કરવો મિત્રો આ સૌથી મહત્વનો મુદો છે. જરા ધ્યાનથી વાંચજો. આપણે બધાને ખબર છે કે આપણે ફ્રી સમયમાં મોબાઈલ વગર રહી નથી શકતા ત્યારે આપણા હાથમાં મોબાઈલ સીધો આવી જાય છે. જ્યારે મોબાઇલની બેટરી ઓછી હોય છે ત્યારે તમે તેને ચાર્જિંગમાં મૂકો છો અને મોબાઇલ વગર તમે રહી ના શકો એટલે તમે મોબાઇલને ચાલુ ચાર્જિંગમાં પણ ઉપયોગ કરો છો પણ તમારે આવું ન કરવું જોઈએ કારણ કે મોબાઇલને તમે એક બાજુ ચાર્જિંગ કરો અને બીજી બાજુ તેનો વપરાશ કરીને તમે તેને ડિસ્ચાર્જ કરો છો. આવી રીતે તમારી બેટરી પર વધારે લોડ આવે છે તેને લીધે બેટરીનું આયુષ્ય ઘટવા